લલકાર કરી શમશેર અને ભાલો કર ધર્યા. તો વળી વસુંધરાએ જય વનદેવતા," કહીને ધનુષ્ય પર ત્રણ બાણ ચડાવ્યા અને પ્રથમ પ્રહાર કરી વીરસિંહ તરફ હુમલો કરવા જતાં ત્રણ સૈનિકોનાં ગળા વીંધી નાખ્યાં. તો વીરે ગજબનું સાહસ બતાવતાં વસુંધરા પર હુમલો કરવા આવતાં સૈનિકો જોઈ વસુંધરાને પોતાની પાછળ ખસેડી જબરજસ્ત ભલાનાં પ્રહારથી એકસાથે ત્રણ સૈનિકોને એકસાથે ભાલો સોંસરો પેરોવી દીધો. ભયંકર યુદ્ધ જામ્યું રાજમહેલમાં. મેઘરાજ ઉપર રહીને ચીસો પાડતો રહયો,"જોઈ શું રહ્યાં છો બે લોકોને પહોંચી નથી શકતાં? એકસાથે હુમલો કરો અને કાપી નાખો." વીર, વસુંધરાના તલવાર, ભાલો, ને બાણ વીજળી વેગે ચાલવા લાગ્યાં. ચારેય બાજુથી આવતાં દુશ્મનોનો સંહાર કરવા લાગ્યાં. લોહીની ધાર વહેવા લાગી, ભયંકર ચીસો સાંભળવા લાગી. અદભુત યુદ્ધનાં વીર ને વસુંધરા રચીને દુશ્મનોને ભયભીત કરી રહ્યાં હતાં. જાણે શિવશક્તિ આજ મહેલમાં તાંડવ કરી રહ્યાં હોય તેવુ દ્રશ્ય લાગતું હતું. આ તરફ વીરનાં બાહુબલી મામા અને વસુંધરાનાં પિતા ભાળ મળતાં જ મહેલનો દરવાજો તોડવા મથઈ રહ્યાં હતાં, અને સૈનિકો ઝરૂખે દોરડા નાંખી મહેલમાં ચડવાની વ્યવસ્થા કરતાં હતાં. વનવાસી રાજા દીકરીની જાન બચાવવાં પહેલાં જ બાજુના ઝાડ પર ચડીને સીધાં ઝરુખે છલાંગ મારી, પહોંચીને ઉપર જતાં પહેલી જ ટક્કર મેઘરાજ અને તેનાં સૈનિકો સાથે લડવા લાગ્યાં. પિતાને જોતાં જ વસુંધરાએ નમન કર્યા, તો પિતાએ 'જય વનદેવતા' કહીને સામે આવેલા બે સૈનિકોને ઉપર થી લોખંડી કાતરી હથિયાર મારતાં સીધું ગળામાં ખુંચી ગયું, અને એક જ હાથના પ્રહારથી બંનેને નીચે ફેંકી દીધાં. પિતાનું સાહસ જોઈ વસુંધરાએ પણ વીરના ખંભા ઉપર ચડી સિંહણની જેમ છલાંગ મારી બે દુશ્મનોની છાતીમાં બાણ ઘુસાડી સ્વર્ગલોક પહોંચાડી દીધાં, તો વળી વીરનો ગુસ્સો આસમાને પહોંચેલ હતો, આગ ઝરતી આંખો ને લોહી થી નીતરતી તલવાર કર ધરી સાક્ષાત કાળની જેમ સિંહની જેમ ગર્જના કરી કત્લેઆમ કરી દુશ્મનોને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવતો હતો. આ તરફ બહાર રાજવી મામાનો ગુસ્સો વધી ગયો, તેમણે હાથમાં લોખંડી ગોળી લઈ ગોળ-ગોળ ફેરવીને પ્રચંડ વેગથી દરવાજા પર મારતાં દરવાજાના છોતરાં ઊડી ગયાં, અને રોકીને ઉભેલા અંદરના સૈનિકોનાં માથાં શ્રીફળની જેમ વધેરાઈ ગયાં. દરવાજો તૂટતાં જ ઝીંઝુવાડાના રાજપૂતોએ સૈનિકોએ "જય ભવાની" નાં નારાં સાથે દુશ્મન સૈનિકો પર તૂટી પડ્યાં. મેઘરાજ બાજી પલટાયેલી જોઈ ગભરાયો તેને તલવાર કાઢી ઉપર લડી રહેલાં વનવાસી રાજા વસુંધરાનાં પિતાની પીઠ પાછળ જઈને પાછળથી તલવાર ઘુસાડી દીધી. હાહાકાર મચી ગયો, અને વસુંધરાનાં ઘાયલ પિતાએ તેને બોચીમાંથી પકડીને બોલ્યાં,"ફટ રે કાયર, પાછળથી વાર કરનાર તું એક રાજપુતનું લોહી તો ન જ હોઈ શકે," કહીને જોરદાર